આપણને આપવાનો વિચાર કરવા માટે ટેવાયેલા છીએ કંઈક તરીકે આપણે કરવું જોઈએ. અને તે છે. પરંતુ તેના વિશે આ રીતે વિચારવાનો, અમે એકમાંથી ગુમ થઈ ગયા છીએ માનવ હોવાના શ્રેષ્ઠ ભાગો: કે આપણે આનંદ શોધવા વિકસિત થયા છે અન્યને મદદ કરવામાં. ચાલો આપવાનો વિચાર કરવાનું બંધ કરીએ ફક્ત આ નૈતિક જવાબદારી તરીકે અને તેના વિશે વિચારવાનું શરૂ કરો આનંદ સ્ત્રોત તરીકે. આભાર. ક્રિસ એન્ડરસન: શેપ, આવવા બદલ તમારો આભાર. મને લાગે છે કે તમારું વિમાન શાબ્દિક બે કલાક પહેલા વાનકુવરમાં ઉતર્યું છે તમારી પાસે આવી સારવાર. તેથી, પદાર્થ અવકાશ-સમયને વિકૃત કરે છે, અને પછી અવકાશ નો સમય તેની ફરતે કેવી રીતે ફરવું તે બાબત માં કહે છે અને। તમે નાના પર્યાપ્ત ક્ષેત્ર માટે પૂરતી બાબત મેળવી શકો છો કે તે જગ્યાના સમયને પંચર કરે છે, અને તે પ્રકાશ છટકી પણ શકતો નથી, ગુરુત્વાકર્ષણ બળ પણ અંદર પ્રકાશ રાખે છે સીએ: અને તેથી, તે પહેલાં, એ કારણ થી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એનું કારણ સૂર્ય નથી આપણે વિચારીએ તેમ પૃથ્વીને ખેંચી રહ્યું છે, પરંતુ તેનો આકાર જગ્યા શાબ્દિક રૂપે બદલાઈ ગઈ છે જેથી આપણે ફક્ત સન ની આસપાસ ની સમસ્યા સુલઝાવી શકીએ એસડી: બરાબર, અવકાશ-સમયની ભૂમિતિ પૃથ્વીને કહે છે કે કેવી રીતે સૂર્ય ની આસપાસ ફરવું તમે લગભગ અવકાશ-સમય દ્વારા બ્લેક હોલ નું પંચર જોઈ રહ્યા છો અને જ્યારે તે ખૂબ ઉંડે જોડે જાય છે, પછી ત્યાં એક બિંદુ છે જે પ્રકાશ દ્વારા બ્લેક હોલનું ભ્રમણ કરે છે. આ કોઈ છબી નથી, આ કમ્પ્યુટર સિમ્યુલેશન છે આપણે હંમેશાં શું વિચાર્યું છે, જેમ, બ્લેક હોલ ની આસપાસ ઘટના ક્ષિતિજ થાય છે એસડી: છેલ્લા અઠવાડિયા સુધી, અમને કોઈ ખ્યાલ નહોતો કે બ્લેક હોલ ખરેખર કેવો દેખાતો હતો સુપર કોમ્પ્યુટર્સની જેમ અમે જે કરી શકીએ છીએ તે શ્રેષ્ઠ છે પણ અહીં તમે પ્રકાશની આ વીંટી જુઓ, જે ફોટોન ની ભ્રમણકક્ષા છે. શાબ્દિક રીતે બ્લેક હોલ ને ફોટોન ની ફરતે પરિભ્રમણ કરાવો અને તેની આસપાસ આ ગરમ ગેસ છે જે બ્લેક હોલ તરફ દોરેલું છે, આ બધા ગેસ ખૂબ જ નાના વોલ્યુમમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી તે ગરમ થાય છે. સીએ: થોડા વર્ષો પહેલા, તમે આ મિશન શરૂ કર્યું બધી વસ્તુ નો પ્રયાસ કરી એક વસ્તુ વ્યવસ્થિત રીતે કરવી અને હું માનું છું કે તમે લીધો હતો તમે ત્યાં આ ગેલેક્સી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અમને આ ગેલેક્સી વિશે કહો. સીએ: પંચાવન મિલિયન. એસડી: જે એક